તો ચાલો આપણે જાણીએ. ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એટલે શું? ઈનપુટ એટલે શું? પ્રોસેસ એટલે શું? આઉટપુટ એટલે શું? ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કેવી રીતે કામ કરે છે? ફ્રિજનું ઉદાહરણ:- ઘંટીનું ઉદાહરણ:- મિક્ષરનું ઉદાહરણ:- ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એટલે શું? કમ્પ્યુટરમાં ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એક રીત છે જેના દ્વારા કમ્પ્યુટર કામ કરે છે. કમ્પ્યુટર, આ રીત દ્વારા આપણાં જીવનને સહેલું બનાવે છે. ચાલો એક એક કરીને જાણીએ. ઈનપુટ એટલે શું? ઈનપુટનો અર્થ દાખલ કરવું થાય છે. કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા કે નિર્દેશને દાખલ કરવાની ક્રિયાને ઈનપુટ કહેવાય છે. કમ્પ્યુટરમાં આપણે વિવિધ પ્રકારના ડેટા દાખલ કરીએ છે જેમ કે લખાણ, અવાજ, વિડિયો વગેરે જેવા ડેટા ઈનપુટ ડિવાઇસ દ્વારા કમ્પ્યુટરમાં દાખલ થાય છે. કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને ઈનપુટ કરવા માટે ઈનપુટ ડિવાઇસની જરૂર પડે છે. ઈનપુટ ડિવાઇસમાં સૌથી વધુ વપરાતા માઉસ અને કીબોર્ડ છે. પ્રોસેસ એટલે શું? પ્રોસેસનો અર્થ પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા એટલે કમ્પ્યુટરમાં દાખલ કરેલા ડેટા ઉપર પ્રક્રિયા કરવી. કમ્પ્યુટરના ઈનપુટ ડિવાઇસ દ્વારા જે પણ ડેટા દાખલ કરેલા છે તેના પર પ્રક્રિયા કરવી તેને પ્રોસેસ કહેવાય છે. પ્રોસેસને પ્રોસેસિંગ પણ કહેવાય છે. પ્રોસેસ કરવા માટે પ્રોસેસિંગ ડિવાઇસની જરૂર પડે છે. જેમાં સીપીયુ ખૂબ મહત્વનું હોય છે. આઉટપુટ એટલે શું? આઉટપુટનો અર્થ પરિણામ છે. કમ્પ્યુટરના ઈનપુટ ડિવાઇસ દ્વારા જે પણ ડેટા દાખલ કરવામાં આવે છે તેના પર કમ્પ્યુટર પ્રક્રિયા કરીને યોગ્ય પરિણામ લાવે છે તેને આઉટપુટ કહેવાય છે. જેમ કે તમે કમ્પ્યુટરમાં જે પણ સરવાળો કે ગુણાકાર કર્યો હોય અને તેનું પરિણામ જે પણ આવ્યું હોય તેને આઉટપુટ કહેવાય છે. કમ્પ્યુટરમાં આઉટપુટ જોવા માટે આઉટપુટ ડિવાઇસની જરૂર પડે છે જેમાં સૌથી મહત્વનું આઉટપુટ ડિવાઇસ મોનીટર છે. કમ્પ્યુટરમાં જે પણ પ્રક્રિયા થશે તેનું આઉટપુટ મોનીટર પર બતાવવામાં આવે છે. ચાલો હવે આપણે જાણીએ કે આ કામ કેવી રીતે કરે છે. ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કેવી રીતે કામ કરે છે? ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટને સમજવા માટે આપણે નીચેના ઉદાહરણ સમજવા પડશે. ફ્રિજનું ઉદાહરણ:- તમારે એક બરફની ટ્રે જોઈએ છે જેમાં કડક-કડક બરફની જરૂર છે. હવે તમે ટ્રે માં પાણી ભરશો અને તેને ફ્રિજમાં મુકશો, આને ઈનપુટ કહી શકાય છે. હવે ફ્રિજ તે પાણી ભરેલા પર પ્રક્રિયા કરશે અને તેને ખૂબ ઠંડુ પાડશે, આને પ્રોસેસ અથવા પ્રોસેસિંગ કહેવાય છે. હવે જ્યારે તમે થોડા કલાકો પછી ફ્રિજ ખોલશો તો તમને બરફથી ભરેલી ટ્રે જોવા મળશે, આને આઉટપુટ કહેવાય છે. ઘંટીનું ઉદાહરણ:- તમારે એક વાટકો ભરીને ઘઉં દળવા છે અને